સની દેઓલની ' ગદર બે' માં જોવા મળી આ પાંચ મોટી ભૂલ. ફિલ્મ જોવા જતા પહેલા વાંચી લો કે કેવા રિવ્યૂ. સની દેઓલ અને અમીષા પટેલની બહુપ્રતિક્ષિત ફિલ્મ ગદર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને બમ્પર ઓપનિંગ મળવાની અપેક્ષા છે કારણ કે એણે એડવાન્સ બુકિંગમાં જ લગભગ વીસ લાખ ટિકિટ વેચી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. સની દેઓલ અને અમીષા પટેલે ગદર બેના પ્રમોશનમાં તમામ શક્તિ લગાવી દીધી છે. પરંતુ ફિલ્મમાં જે બઝ હતી તેની સરખામણીમમાં તે નિસ્તેજ છે. બાવીસ વર્ષ પહેલા આવેલા ગદર સાથે લોકોની ઘણી યાદો જોડાયેલી છે. આ ફિલ્મના ઘણા પાત્રો દર્શકોના દિલમાં વસે છે. ભારત-પાકિસ્તાનનું કાવતરું ઘડીને સર્જાયેલો બળવો સફળ રહ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર બિઝનેસ કર્યો હતો. આંખો ભીની બોલિવૂડ હંગામાના અહેવાલ અનુસાર, ભારતીય સેનાના કેટલાક લોકોએ તેમના પરિવાર સાથે ફિલ્મ જોઈ હતી. સ્ક્રિનિંગ દરમિયાન આંસુ અને તાળીઓના ગડગડાટ વચ્ચે અને પ્રતિક્રિયા જોઈને ફિલ્મના નિર્માતાઓ ખૂબ જ ખુશ થયા. તેણે સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્માની એક્ટિંગની પ્રશંસા કરી. અહેવાલો અનુસાર, ગદર બે ની સ્ક્રીનિંગને સારો પ્રતિસાદ મળ્યો છે. તેના બદલે 'ગદર- એક લવ સ્ટોરી' કરતાં વધુ સારી છે. તે લોકો સ્ક્રીનિંગ દરમિયાન હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. પ્રાપ્ત પ્રતિસાદ ઉત્સાહી અને સકારાત્મક છે. ફિલ્મમાં પાંચ મુખ્ય ખામીઓ છે પહેલા ગદરમાં સની દેઓલના હેન્ડપંપને ઉખાડી નાખવાનું દ્રશ્ય યાદ રહેશે. આજે પણ એ દ્રશ્યની ચર્ચા થાય છે. દ્રશ્ય અને પરિસ્થિતિ પ્રમાણે તે થીજી રહ્યો હતો. પરંતુ ગદર બે માં દેખાડવામાં આવેલ હેન્ડપમ્પ સીન જોઈને લોકોને હસવું બંધ થઈ જાય છે. બ ઘણી જગ્યાએ તર્કનો અભાવ ફિલ્મને નબળી બનાવે છે. ગદર આગળ વધ્યો કારણ કે તેના સંવાદમાં પંચ હતો. લોકોએ તાળીઓ પાડવા લાગ્યા. પરંતુ જો ગદર બે ના થોડાક સંવાન્દો છોડી દેવામાં આવે તો તેમાં બાવીસ વર્ષ પહેલા આવેલા ગદરની સરખામણીમાં કોઈ પ્રભાવશાળી સંવાદો નથી. પહેલા હાફમાં સની દેઓલ લાંબા સમય સુધી ક્યાંક જોવા મળ્યો નથી. તારા સિંહ વિજેતા બન્યા વિના, ઉત્કર્ષ આ ફિલ્મને પોતાના ખભા પર સંભાળી શક્યો નહીં. સની દેઓલ વિના ફિલ્મ બોરિંગ શરૂ થાય છે. ફિલ્મની વાર્તા ઓગણીસો એકોતેર ની છે, એ વાત સાચી છે, પરંતુ ફિલ્મને આપવામાં આવેલી ટ્રીટમેન્ટ પણ જૂની છે, જે વાર્તાને ખૂબ ખેંચે છે, બોરિંગ બનાવે છે. સની દેઓલ સિવાય અભિનય પ્રત્યે કોઈ સમર્પિત નથી. પ્રથમ વિદ્રોહ પછી દેશભક્તિની ભાવનાથી ભરપૂર ઘણી ફિલ્મો બની. ભારત-પાકિસ્તાનનો મુદ્દો હોવા છતાં દે તેમાં દેશભક્તિનો ભાગ ઘણો નબળો લાગે છે.